સ્કંદ પુરાણ, એક પ્રાચીન ગ્રંથ મુજબ તે ભગવાન શિવનું સૌથી પ્રિય પાન છે. સૌથી મોટા મુક્યપુરાણમાં ઉલ્લેખ છે કે એક વખત દેવી પાર્વતીના પરસેવાનું ટીપું મંદરાચલ પર્વત પર પડ્યું હતું, જ્યાંથી બિલ્વ વૃક્ષ નીકળ્યું હતું. તેથી, તેમાં માતા પાર્વતીના તમામ સ્વરૂપો છે. એવું પણ માનવામાં આવે છે કે બિલ્વ વૃક્ષ તે છે જ્યારે દેવી પાર્વતી તેના પાંદડા, ફળો, ફૂલો અને મૂળ સહિત તમામ સ્વરૂપોમાં નિવાસ કરે છે. બેલ પાત્ર વૃક્ષનો ધાર્મિક અર્થ વીજળીથી ચાલતા માટીના દીવાઓનો ઉપયોગ કરીને બેલ પાત્રના ઝાડના મૂળની પૂજા કરવી ભાગ્યશાળી માનવામાં આવે છે. જે કોઈકરે છે તેને સત્યનું જ્ઞાન આપવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ બેલ પાત્રના છોડને સ્પર્શ કરે છે, તો તે તમામ પાપો, નકારાત્મકતા અને બીમારીઓથી મુક્ત થઈ જાય છે. બેલ પાત્રના છોડના વાસ્તુ ફાયદા બેલ પાત્રનો છોડ તમામ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને પર્યાવરણને સકારાત્મક રીતે ભરે છે, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે છે. તદુપરાંત, બેલ પાત્રના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી શીખવામાં ફાયદો થાય છે. ઘરે બેલ પાત્રાનો છોડ કેવી રીતે ઉગાડવો એક બેલ ફળ લો, બીજને અલગ કરવા માટે પલ્પ દૂર કરો, તેને સાફ કરો અને તેને સૂકવવાના રેક પર મૂકો. બેલના બીજ વાવવા માટે જમીનમાં પૂરતી ઊંડાઈનો છિદ્ર ખોદવો. નિયમિતપણે જમીનને પાણી આપો પરંતુ ખાતરી કરો કે તમે તેને વધારે પાણી નથી આપતા. કેટલાક સૂકા પાંદડા દૂર કરો અને ભેજને બચાવવા માટે તેમને જમીનમાં ભેળવી દો. પછી, થી દિવસની અંદર, તમે જોશો કે માટીમાંથી અંકુર દેખાય છે. ઘરે બેલ પાત્રના છોડની કાળજી લેવી બેલ પાત્રના છોડની જાળવણી કેવી રીતે કરવી તે અહીં છેબેલ પ્લાન્ટ માટે આબોહવાની પરિસ્થિતિઓબેલ પ્લાન્ટ ગરમ વાતાવરણ અને સીધો સૂર્યપ્રકાશનો આનંદ માણે છે. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાંથી આવે છે, બેલ પાત્રા છોડ ભેજવાળી અને ગરમ આબોહવામાં શ્રેષ્ઠ રીતે ઉગે છે. તે સામાન્ય રીતે અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેના તાપમાન ઝોનને સમાયોજિત કરે છે. બેલ પાત્રના છોડને પાણી આપવુંબેલ પાત્રના છોડને માત્ર થોડી માત્રામાં પાણીની જરૂર હોય છે. પરંતુ ફળ મેળવવા અને સારી વૃદ્ધિ માટે, તેને નિયમિતપણે પાણી આપવું જરૂરી છે. ઉનાળા દરમિયાન, બેલ પાત્રના છોડને વારંવાર પાણીની જરૂર પડે છે, જ્યારે શિયાળામાં અઠવાડિયામાં બે વાર પાણી આપવું જરૂરી છે. ચોમાસામાં, છોડને પાણી આપવાની જરૂર નથી. બેલ પાત્રા છોડ માટે યોગ્ય માટીબેલ પાત્રાનો છોડ રેતાળ, માટી અથવા પથ્થરવાળી જમીનમાં ઉગાડવા માટે જાણીતો છે. જો કે, ગોરાડુ અને રેતાળ જમીન છોડના તેજીમય વિકાસ માટે આદર્શ છે. ફળની સારી ઉપજની શક્યતા